અને મને યાદ છે કે અમે મોલની બહાર નીકળ્યા, તે ઝગમગતું ગરમ હતું, મેં તેની તરફ જોયું, અને અમને બંનેને તે ફિલ્મ ભગવાનના કોલની જેમ જ લાગી. તમે જાણો છો? માત્ર... પરંતુ સંપૂર્ણપણે અલગ. હું અભિનેતા બનવા માંગતો હતો. મારે કંઈક એવું બનવું છે જે લોકો અનુભવે છે. હું તેનો એક ભાગ બનવા માંગું છું. અને તે સૈન્યમાં રહેવા માંગતો હતો. તે બધું આપણે કર્યું છે, એફબીઆઈ, પોલીસ ભજવવાનું ચાકુ રમો, તમે જાણો છો, હું મારી તલવાર સાથે ડોળ કરું છું, અને તે વર્કિંગ ક્રોસબો બનાવશે કે તમે એક ઝાડ પર એક તીર શૂટ કરી શકો છો. તેથી તે સેનામાં જોડાય છે. સારું, તેણે ગ્રીન બેરેટ્સમાં એક કર્ન કર્નલને નિવૃત્ત કર્યો. તે અફઘાનિસ્તાન અને ઇરાકનો મલ્ટિડેકરેટેડ લડાઇ પીઢ છે. તે હવે સૈનિકોના બાળકો માટે સૈનિક કેમ્પ શીખવે છે. તેણે ઉત્સાહને પોતાનું જીવન આપ્યું. તેમની સર્જનાત્મકતા નેતૃત્વ હતી, અન્યના અગ્રણી, તેમની બહાદુરી, મદદ કરવા માટે. તે એવું હતું જે કરવા માટે કહેવામાં આવ્યું હતું, અને। તે તેને પાછું આપ્યું. આપણે આ જાણીએ છીએ આપણા જીવનનો સમય ખૂબ ઓછો છે, ખર્ચ કેવી રીતે કરીએ શું આપણે તે કરવામાં ખર્ચ કરી રહ્યા છીએ કે આપણા માટે શું મહત્વનું છે? આપણામાંથી મોટા ભાગના નહી. મારો મતલબ કે તે મુશ્કેલ છે. ટેવની ખેંચ એટલો વિશાળ છે, અને તે જ બાળકોને ખૂબ સુંદર સર્જનાત્મક બનાવે છે, એ છે કે તેમને કોઈ ટેવ નથી, અને તેઓ કાળજી લેતા નથી કે તેઓ સારા છે કે નહીં, ખરું? તેઓ સેન્ડકાસલ જઈને નથી બનાવી રહ્યા, "મને લાગે છે કે હું ખરેખર એક સારો સેન્ડકાસલ બિલ્ડર બનવા જઈશ. " તમે જે પ્રોજેક્ટને તેમની સામે મુકો છો તે તેઓ ફેંકી દે છે નૃત્ય, પેઇન્ટિંગ, કંઈક મકાન: તેમની પાસે કોઈ તક છે, તેઓ તેનો ઉપયોગ તમારા પર તેમના વ્યક્તિત્વને પ્રભાવિત કરવા માટે કરે છે. તે ખુબ સુંદર છે. તે એવું છે જે મને ચિંતિત કરે છે જ્યારે તમે સર્જનાત્મકતા વિશે વાત કરો છો, કારણ કે તેને આ પ્રકારની અનુભૂતિ થઈ શકે છે કે તે ફક્ત સારી છે, તમે જાણો છો, અથવા તે ગરમ છે અથવા તે કંઈક સુખદ છે. તે નથી. તે મહત્વપૂર્ણ છે. તે એકબીજાને સાજા કરવાની રીત છે. અમારા ગીત ગાવામાં, અમારી વાર્તા કહેવામાં, તમને આમંત્રણ આપતાં, "અરે, મારી વાત સાંભળો, અને હું તમને સાંભળીશ," આપણે એક સંવાદ શરૂ કરી રહ્યા છીએ. અને જ્યારે તમે તે કરો છો, ત્યારે આ ઉપચાર થાય છે, અને આપણે આપણા ખૂણામાંથી બહાર